જો તમામ આવશ્યકતાઓ પૂર્ણ થશે તો સરકાર પ્રોજેક્ટના કુલ ખર્ચની અડધી મૂડી આપશે. સેમીકન્ડક્ટર અને માઇક્રો ચીપ માટે ચીન અને તાઇવાન પર નિર્ભરતા ઘટાડવા માટે અમેરિકા સહિત દુનિયાભરના દેશો પોતાને ત્યાં ચીપનું મેન્યુફેક્ચરિંગ કરવાની યોજના ઘડી રહ્યા છે. જો કે ભારતમાં અત્યાર સુધી આ અંગે કોઇ પ્રગતિ થઇ શકી નથી. હાલ મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, નાની-મોટી તમામ ઇલેક્ટ્રિક પ્રોડક્ટમાં ચીપ એટલે કે સેમીકન્ડક્ટરનો ઉપયોગ થાય છે. કોરોના કાળમાં ચીન અને તાઇવાનમાં ચીપનું પ્રોડક્શન અટકતા સપ્લાય ઠપ્પ થઇ ગઇ હતી. લોન-ક્રેડિટ કાર્ડ જેવા દેવાથી બચવાના ઉપાયો; બજેટ બનાવી ક્ષમતા અનુસાર ખર્ચ કરો અને ચિંતામુક્ત રહો. જો લોન- ક્રેડિટ કાર્ડ બીલ કે અન્ય દેવાને યોગ્ય રીતે મેનેજ કરવામાં ન આવે તો તે મોટી નાણાકીય સમસ્યા તરફ ધકેલી શકે છે. મકાન, અન્ય ખર્ચાઓ અને કરિયાણા જેવી જરૂરિયાતો માટે ભંડોળ ફાળવો અને બચત માટે એક ભાગ અલગ રાખો. હાલ ઘણા બધા વ્યક્તિઓ લોન અને દેવાના ડુંગરતળે દબાયેલા છે. દેવું તમારી બચત – રોકાણ ને પણ સાફ કરી નાંખે છે. તમારું નાણાંકીય ભવિષ્ય પણ અસ્તવ્યક્ત કરી દે છે. મજબૂત નાણાકીય સદ્ધરતા જાળવવા અને દેવાની જાળમાં ફસાવાથી બચવા માટે અહીં કેટલાક સરળ ઉપાયો જણાવ્યા છે. તમે તમારું ફાઇનાન્સિયલ પ્લાનિગ કરતી વખતે દેવાના બોજથી બચવા આ ઉપાયોને અજમાવી શકો છો. તમારું બજેટ તૈયાર કરો, ચોક્કસ સમયગાળા માટે બજેટ બનાવો જેમાં તમામ આવક અને ખર્ચનો સમાવેશ થાય છે. તમારી ખર્ચ કરવાની ટેવ પર નજર રાખો. તમારી જરૂરિયાતો અને ઇચ્છાઓ પર ખર્ચ કરવા માટેના ખર્ચની શ્રેણી નક્કી કરો. મકાન, ઉપયોગિતાઓ અને કરિયાણા જેવી જરૂરિયાતો માટે ભંડોળ ફાળવો અને બચત માટે તમારી કુલ આવકનો એક ભાગ અલગ રાખો. ચોક્કસ બજેટને વળગી રહેવાથી બિનજરૂરી ચીજો પાછળ થતા વધુ ખર્ચથી બચી શકો છો. ઈમરજન્સી ફંડ પણ તૈયાર રાખો, અણધાર્યા ખર્ચાઓને પહોંચી વળવા માટે બચતની સાથે ઈમરજન્સી ફંડની વ્યવસ્થા કરો. આવા આકસ્મિક નાણાંકીય ભંડોળની વ્યવસ્થા રાખવાથી તમને ક્રેડિટ કાર્ડ અથવા લોન પર નિર્ભર રહ્યા વગર નાણાંકીય મુશ્કેલ સમયનો સામનો કરવામાં મદદ મળે છે. તમારા ઈમરજન્સી ફંડમાં ઓછામાં ઓછા ત્રણ મહિનાથી લઈને એક વર્ષના ખર્ચ જેટલી બચત રાખવાનું નક્કી કરો. આમ કરવાથી તમને નાણાંકીય કટોકટી દરમિયાન લોન લેવાની જરૂર પડશે નહી.